તેજ પ્રતાપના આ આક્રમક નિવેદનોથી રાજદ પક્ષની મુશ્કેલીઓ વધી ગઇ છે, જે પાર્ટીના બિહાર એકમના પ્રમુખ જગદાનંદ સિંહના કારણે પહેલાંથી ભીંસ અનુભવી રહી છે. જગદાનંદ સિંહના પુત્ર સુધાકર સિંહ આ મહિનાની શરૂઆતમાં મહાગઠબંધન સરકારમાંથી બહાર નીકળનાર બીજા કેબિનેટ મંત્રી છે, તેઓ કથિત રીતે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથેના મતભેદોને કારણે બહાર નીકળી ગયા છે. આ બેઠકમાં હાજરી આપનાર સુધાકરે તેના પિતાની ગેરહાજરી અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આ બાબતે નિવેદન આપી શકે છે. લાલુ અને તેજસ્વીએ બેહજાર ચોવીસ ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષ એકતાના સૌથી મજબૂત સમર્થકનો રાજકીય રોડમેપ તૈયાર કરવાના લક્ષિત એજન્ડાથી ભટકાવતા નિવદેનો ન કરવા અપીલ કરી હતી. તેજસ્વી યાદવે સમજાવ્યું કે, આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે. કદાચ હું બધાને ખુશ કરવા સક્ષમ ન હોઉં કે એવું પણ બની શકે હું બધા સાથે ખુશ ન પણ હોઉં પરંતુ મોટા પડકારો અને મુશ્કેલીઓમાં અહીં બેઠેલા આપણે બધા એક સાથે છીએ. હું કદાચ કોઈને પસંદ ન કરું, એવું પણ બને કે કોઈને હું ન ગમુ, આ બાબત માણસના સ્વભાવ પર જાય છે. પરંતુ હું અહીં બેઠેલા બધાને હાથ જોડીને વિનંતી કરીશ કે પાર્ટીના એજેન્ડાને મહેરબાની કરીને નબળો ન પડવા દો. આપણે બેહજાર ચોવીસના એક મોટા યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ. કથિત જમીન જોબ કૌભાંડમાં લાલુ સામે સીબીઆઈની તાજેતરની ચાર્જશીટનો ઉલ્લેખ કરતા, તેજસ્વીએ કહ્યું કે આરજેડી સુપ્રીમોને પરેશાન કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે ભાજપ સમક્ષ સમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિપક્ષે આરએસએસ ભાજપ સામેની લડાઈમાં નિડર રહેવું જોઈએ. દિલ્હી દેશની રાજધાની છે. અમે વિપક્ષમાં રહેલા અમારા મિત્રોને કહેવા માંગીએ છીએ, ગભરાશો નહીં, આશા ગુમાવશો નહીં, આપણે લડીશું અને જીતીશું. આપણે આ દિશામાં મહેનત કરી રહ્યા છીએ અમારા આખા પરિવાર સામે કેસ ચાલે છે. કેસ દાખલ કરવા માટે, જેવી તમામ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જે નેતા સરકારની વિરુદ્ધમાં બોલે છે તેણે ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સની કાર્યવાહીનો સામનો કરવો પડે છે, એવું તેમણે ઉમેર્યુ હતુ. તેજશ્વી યાદવે કહ્યું, દેશની સામે સૌથી મોટો પડકાર છે, જેની દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ ભૂમિકા નહોતી અને તેણે પોતાનો બધો સમય અંગ્રેજોના હિતોને પોષવામાં અને તેમની સેવા કરવામાં વિતાવ્યો હતો. તેનો એજન્ડા સાંપ્રદાયિક સદભાવનાને બગાડવાનો છે અને આપણે તેમની સામે વૈચારિક રીતે લડવાની જરૂર છે, વિપક્ષી એકતા માટેના રોડમેપ અંગે આરજેડીના રાજ્ય સભાના સાંસદ મનોજ ઝાએ જણાવ્યુ હતું કે,વિપક્ષ સામાન્ય લોકોના જીવનને અસર કરતા મુદ્દાઓ સમસ્યાઓ ઉઠાવીને વડાપ્રધાન નરેન્દ્ર